તમારા ઘરના બગીચામાં સુંદર વેલો ઉમેરવાથી તેની આકર્ષણ અનેક ગણી વધી શકે છે. ફૂલની મોહક સુગંધ બહારના વાતાવરણમાં ઉમેરો કરે છે. દક્ષિણ અમેરિકાના વતની હોવા છતાં, છોડ ભારતમાં સરળતાથી ઉગાડી શકાય છે. થોડી કાળજી રાખીને તમે તમારા બગીચામાં પેસિફ્લોરા કેરુલીઆ વેલો ઉગતા અને તેના સુંદર ફૂલો ખીલતા જોશો. નીચે દર્શાવેલ ટિપ્સ તમારામાંથી જેઓ પેસિફ્લોરા કેરુલીયા ઉગાડવાનું આયોજન કરે છે તેમને મદદ કરી શકે છે. આગળ વધતા પહેલા, તમારે જાણવું જોઈએ કે તે સ્ટેમ કટીંગ્સ તેમજ બીજમાંથી ઉગાડી શકાય છે. વાદળી-રંગીન ફૂલનો પ્રચાર કરવા માટે પગલું મુજબની પ્રક્રિયા સાથે પ્રારંભ કરીએ. બીજ મેળવો, બીજ એકત્રિત કરીને પ્રારંભ કરો. તમે ઉત્કટ ફળમાંથી સરળતાથી બીજ મેળવી શકો છો. તમે તેના બીજ પર હાથ નાખો તે પહેલાં ફક્ત ખાતરી કરો કે ફળ પાકેલું છે. આગલા પગલા પર આગળ વધતા પહેલા તમારે બીજને સંપૂર્ણપણે ધોવા અને સૂકવવા જોઈએ. વૈકલ્પિક રીતે, તમે ઓનલાઈન અથવા નજીકની નર્સરીમાંથી બીજ ખરીદી શકો છો. બીજને પલાળી અને સાફ કરો. આગળ, તમારે બીજને આખી રાત ગરમ પાણીમાં પલાળી રાખવાની જરૂર છે. પાણી પર તરતા હોય તેને કાઢી નાખો. કોઈ પણ ગંદકી અથવા કાટમાળથી છુટકારો મેળવવા માટે બાકીનાને નરમાશથી સાફ કરો. આવું કરતી વખતે સાવચેત રહો નહીંતર તમે બીજને નુકસાન પહોંચાડી શકો છો. પ્રક્રિયા માટે તમે ટીશ્યુ પેપર અથવા સેન્ડપેપરનો ઉપયોગ કરી શકો છો. બીજ અંકુરિત કરો, ભીની માટી અને ખાતરથી ભરેલો નાનો વાસણ લો. હવે, બીજને જમીનની સપાટી પર મૂકો. ખાતરી કરો કે તમે બીજને જમીનમાં દાટી દો કારણ કે તેમને અંકુરિત થવા માટે પૂરતા પ્રકાશની જરૂર છે. ભેજને જાળવવા અને અંકુરણને સક્ષમ કરવા માટે પોટની આસપાસ સ્પષ્ટ પ્લાસ્ટિકની થેલી લપેટી દો. આવરિત પોટને સીધા સૂર્યપ્રકાશથી દૂર ગરમ જગ્યાએ મૂકો. એક ટેબ રાખો. બીજ અંકુરિત થયા છે કે નહીં તે જોવા માટે તેને તપાસતા રહો. બીજ સામાન્ય રીતે બે મહિનામાં અંકુરિત થાય છે. એકવાર તેઓ અંકુરિત થાય અને તમે જોશો કે નાના પાંદડા બહાર નીકળે છે. સૂર્યના સીધા કિરણો તેમના પર પડવા દો. રીપોટ કરવાનો સમય એકવાર તમે સારી સંખ્યામાં પાંદડા જોશો, પછી તમે તેને મોટા વાસણમાં અથવા તમારા બગીચાના વિસ્તારમાં ફરીથી મૂકી શકો છો. વેલો આંશિક છાયામાં તેમજ સીધા સૂર્યપ્રકાશ હેઠળ ખીલશે. તેથી, તમે તે મુજબ યોગ્ય સ્થાન પસંદ કરી શકો છો. તે વાડ, થાંભલા અથવા એવી કોઈ વસ્તુની નજીક ઉગાડવી જોઈએ જે વેલોને ચઢી શકે. મચ્છરોથી કેવી રીતે છુટકારો મેળવવો?